લાલ રક્તકણો શરીરની આસપાસ ઓક્સિજન વહન કરે છે. તેઓ તમારા હાડકાના અસ્થિમજ્જાની અંદર બનાવવામાં આવે છે. માનવ ત્વચાનો રંગ શરીર દ્વારા ઉત્પાદિત પિગમેન્ટ મેનાનિનાના સ્તર દ્વારા નક્કી કરવામાં આવે છે. ઓછી માત્રામાં મેલાનિન ધરાવતા લોકોની ત્વચા હળવી હોય છે જ્યારે મોટી માત્રામાં હોય તેમની ત્વચા કાળી હોય છે. પુખ્ત વયના ફેફસાંનું સપાટીનું ક્ષેત્રફળ લગભગ સીતેર ચોરસ મીટર છે! મનુષ્યમાં ઊંઘનો એક તબક્કો હોય છે જેમાં આંખની ઝડપી ગતિ હોય છે. તે ઊંઘ કુલ ઊંઘના સમયના લગભગ પચીસ પરસેન્ટ જેટલી હોય છે, અને જ્યારે તમે તમારા સૌથી આબેહૂબ સપના જોતા હો ત્યારે તે ઘણી વખત હોય છે. મોટાભાગના પુખ્ત વયના લોકોમાં બત્રિસ દાંત હોય છે. માનવ શરીરમાં જોવા મળતું સૌથી નાનું હાડકું મધ્ય કાનમાં આવેલું છે. સ્ટેપલ્સ અસ્થિ માત્ર બે પોઇન્ટ આઠ મિલીમીટર લાંબુ છે. તમારા નાક અને કાન તમારા સમગ્ર જીવન દરમિયાન વધતા રહે છે. શિશુઓ મિનિટમાં માત્ર એક કે બે વાર ઝબકતા હોય છે, જ્યારે પુખ્ત વયના લોકો સરેરાશ દસ ની આસપાસ હોય છે. અનોખા ફિંગરપ્રિન્ટ્સ સાથે, મનુષ્ય પાસે પણ અનન્ય જીભ પ્રિન્ટ હોય છે. તમારા શરીરની ડાબી બાજુ તમારા મગજની જમણી બાજુ દ્વારા નિયંત્રિત થાય છે, જ્યારે તમારા શરીરની જમણી બાજુ તમારા મગજની ડાબી બાજુ દ્વારા નિયંત્રિત થાય છે. એન્ટિબાયોટિક્સ માત્ર બેક્ટેરિયા સામે અસરકારક છે, તેઓ વાયરસ સામે લડવામાં મદદ કરશે નહીં. ખાધેલા ખોરાકને સંપૂર્ણ રીતે પચાવવા માટે શરીરને લગભગ બાર કલાકનો સમય લાગે છે. તમારી ગંધની સંવેદના તમારી સ્વાદની ભાવના કરતાં લગભગ ગણી વધુ સંવેદનશીલ છે. તમારી આંખો એક મિનિટમાં લગભગ વીસ વખત ઝબકે છે, એટલે કે વર્ષમાં દસ લાખથી વધુ વખત! તમારા કાન ક્યારેય વધતા નથી! ઇયરવેક્સ વાસ્તવમાં એક પ્રકારનો પરસેવો છે! જીભ લગભગ આઠહજાર સ્વાદની કળીઓથી ઢંકાયેલી છે, દરેકમાં સો કોષો છે જે તમને તમારા ખોરાકનો સ્વાદ લેવામાં મદદ કરે છે! તમે તમારા જીવનકાળમાં લગભગ ચાલીસહજાર લિટર થૂંકનું ઉત્પાદન કરો છો. અથવા તેને બીજી રીતે કહીએ તો, લગભગ પાંચસો બાથટબ ભરવા માટે પૂરતું થૂંકવું. નાક! સરેરાશ નાક દરરોજ લગભગ એક કપ અનુસા નાસિકા ઉત્પન્ન કરે છે! જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમે જ્યારે પથારીમાં ગયા હતા તેના કરતા તમે લગભગ એક સેમી ઉંચા છો. આનું કારણ એ છે કે તમારા હાડકાં વચ્ચેની કોમલાસ્થિ ઘસાઈ જાય છે અને દિવસ દરમિયાન સંકુચિત થઈ જાય છે. જો તમે દિવસમાં બાર કલાક ચાલો છો, તો વિશ્વભરમાં ચાલવામાં સરેરાશ વ્યક્તિને છસોનેવું દિવસ લાગશે. એકમાત્ર સ્નાયુ જે ક્યારેય થાકતા નથી તે હૃદય છે. તમારી ત્વચાની સમગ્ર સપાટી દર મહિને